અને આ તે છે જે તમે આ સ્લાઇડમાં જુઓ છો. દરેક લાઇન એ કારકિર્દી છે અને જ્યારે તમારી પાસે પ્રકાશ વાદળી બિંદુ હોય તે કારકિર્દીની ટોચ પર તે કહે છે કે તે તેમનો વ્યક્તિગત શ્રેષ્ઠ હતો. અને સવાલ એ છે કે જ્યારે તેઓ ખરેખર બનાવ્યા તેમની સૌથી મોટી શોધ. તે પ્રમાણિત કરવા માટે અમે સંભાવના શું છે તે જોઈએ છીએ કે તમે તમારી સૌથી મોટી શોધ કરો છો. ચાલો કહીએ એક, બે, ત્રણ અથવા તમારી કારકિર્દી માટે ટેન વર્ષ. અમે વાસ્તવિક ઉંમર તરફ જોઈ રહ્યા નથી. અમે જોઈ રહ્યા છીએ જેને આપણે "શૈક્ષણિક યુગ" કહીએ છીએ. તમારી શૈક્ષણિક વય શરૂ થાય છે જ્યારે તમે તમારા પ્રથમ કાગળો પ્રકાશિત કરો છો. હું જાણું છું કે તમારામાંથી કેટલા હજી બાળકો છે. તો ચાલો સંભાવના જોઈએ કે જે તમે પ્રકાશિત કરો છો તમારું સૌથી વધુ અસરકારક કાગળ. અને તમે જે જુઓ છો તે ખરેખર છે. પ્રતિભા સંશોધન સાચું છે. મોટાભાગના વૈજ્ઞાનિકો પ્રકાશિત કરવાનું વલણ ધરાવે છે તેમના સૌથી વધુ અસર કાગળ તેમની કારકિર્દીના પ્રથમ ટેન, ફિફટિન વર્ષમાં અને તે પછી ટાંકી. તે એટલી ઝડપથી ટાંકી દે છે કે હું લગભગ છું મારી કારકિર્દીમાં હું બરાબર થીરટી વર્ષનો છું અને તક છે કે હું એક કાગળ પ્રકાશિત કરીશ તે વધારે અસર કરશે પહેલાં જે કંઈપણ કર્યું તે કરતાં એક ટકા કરતા પણ ઓછા છે. હું મારી કારકિર્દીના તે તબક્કે છું આ માહિતી અનુસાર. પરંતુ તેની સાથે એક સમસ્યા છે. અમે નિયંત્રણો યોગ્ય રીતે કરી રહ્યાં નથી. તો નિયંત્રણ હશે, વૈજ્ઞાનિક જેવું દેખાશે, વિજ્ઞાન કોણ અમનેમ ફાળો આપે છે? અથવા ઉત્પાદકતા શું છે વૈજ્ઞાનિકની? તેઓ ક્યારે કાગળો લખે છે? તેથી અમે ઉત્પાદકતા માપી અને આશ્ચર્યજનક રીતે ઉત્પાદકતા કાગળ લખવાની તમારી સંભાવના તમારી કારકિર્દીમાં એક વર્ષ, ટેન અથવા ટ્વેન્ટી શક્યતાથી અવિભાજ્ય છે અસર હોય છે તમારી કારકિર્દીના તે ભાગમાં. અને લાંબી વાર્તા ટૂંકી બનાવવા માટે ઘણાં આંકડાકીય પરીક્ષણો પછી તેના માટે ફક્ત એક જ સમજૂતી છે. તે ખરેખર જે રીતે આપણે વૈજ્ કામ કરીએ છીએ શું આપણે લખેલો દરેક કાગળ છે, દરેક પ્રોજેક્ટ અમે કરીએ છીએ, બરાબર એ જ તક છે અમારા વ્યક્તિગત શ્રેષ્ઠ હોવાનો. તે શોધ જેવી છે લોટરી ટિકિટ અને વધુ લોટરી ટિકિટ આપણે ખરીદિયે છે, અમારી તકો વધારે છે.